રાજ્યમાં બે હજાર વીસ માં સિંહ વસ્તી ગણતરીમાં આર્ટીફીશીયલ ઈન્ટેલીજન્સના ઉપયોગથી પ્રથમવાર સાયન્ટીફિક રીતે સિંહોની વસ્તી ગણતરી કરાશે અમદાવાદના સાયન્સ સીટી ખાતે એસ્ટ્રોનોમી એન્ડ સ્પેસ સાયન્સ ગેલેરીનું મુખ્યમંત્રી વિજય રૂપાણીએ ખાતમુહૂર્ત કર્યું આ ઉપરાંત કચ્છ પ્રદેશમાં ધોરાડ પક્ષીઓને વીજવાયરથી થતા અકસ્માતને નિવારવા અંડર ગ્રાઉન્ડ વાયરીંગની સંભાવનાઓ ચકાસવા માટે પણ મુખ્યમંત્રીએ વનવિભાગને જણાવ્યું છે રાજકોટ વિસ્તારના આ નકશાનો ઉપયોગ ભવિષ્યની સેવાઓ કે જે રાજકોટ મહાનગરપાલિકાને મિલકતોની વિગતો જોવા એનલાઈઝ કરવા તેમજ યુટીલાઈઝ કરવામાં ઉપયોગી થશે મુખ્યમંત્રીએ આ બેઠકમાં એક મહત્વપૂર્ણ નિર્ણય કરતા જણાવ્યું કે રાજ્યમાં બે હજાર વીસ માં સિંહ વસ્તી ગણતરીમાં આર્ટીફીશીયલ ઈન્ટેલીજન્સના ઉપયોગથી પ્રથમવાર સાયન્ટીફિક રીતે સિંહોની વસ્તી ગણતરી કરાશે તેમજ વાઈલ્ડ લાઈફ ટુરિઝમમાં સિંહ સાથે રીંછ અભ્યારણ્યનો વિકાસ કરવા વન અને પ્રવાસન વિભાગને સંકલન સાધવા મુખ્યમંત્રીએ હિમાયત કરી હતી મુખ્યમંત્રીશ્રીએ ગુજરાત સાયન્સ સીટી ખાતે વાયબ્રન્ટ સ્ટાર્ટઅપ એન્ડ ટેકનોલોજી સમિટને ખુલ્લી મુકતા જણાવ્યું કે યુવાનોની શક્તિસામર્થ્ય દ્વારા પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીની કલ્પના મુજબના નવા ભારતના નિર્માણમાં યુવાનોની અહમ ભૂમિકા બની રહેવાની છે સ્માર્ટસીટી પ્રોજેક્ટના ભાગરૂપે પર્યાવરણલક્ષી અભિગમ હેઠળ પ્રદૂષણ ધટાડવના ભાગરૂપે આ આયોજન કરાવતા આવ્યું છે સ્ટીમ્યુલેશન ઝોનમાં ફોર ડી ફાઈવ ડી થિયેટરમાં રાઈડ સ્ટીમ્યુલેશન દ્વારા અવકાશી સફરનો રોમાંચક અનુભવ કરી શકાશે લક્ષચંડી મહાયજ્ઞની ભોજનશાળાનો ગઇકાલે વિધિવત પ્રારંભ કરાયો છે ઉંઝા લક્ષચંડી યજ્ઞ ઉમિયા માતાજી મંદિર ઉંઝા ખાતે આગામી અઢાર થી બાવીસ ડિસેમ્બર દરમિયાન લક્ષચંડી મહાયજ્ઞ યોજાનાર છે આ ડેટાના આધારે મહાનગરપાલિકા દ્વારા આપવામાં આવનાર સુવિધાઓ વધુ સચોટ રીતે શોધસંશોધનની જરૂરીયાત સમજાવતા મુખ્યમંત્રીએ કહ્યું કે જરૂરિયાત સંશોધનની જનની છે આ બેઠકમાં વન્ય પ્રાણીઓના સંદર્ભમાં ચાર જેટલા મહત્વપૂર્ણ નિર્ણયો લેવામાં આવ્યા ના કાર્યક્ષેત્રને વિસ્તૃત બનાવવા અંગેનો પરિપત્ર ગઇકાલે જારી કર્યો છે આણંદ સ્થિત નેશનલ ડેરી ડેવલપમેન્ટ બોર્ડ રાજ્યભરમાં આજે નમામિ દેવી નર્મદે મહોત્સવ ઉજવાશે પંદર રાજ્ય સરકારે પહેલી ઓક્ટોબરથી રાજ્યભરમાં નોન જ્યુડીશ્યલ ફીઝીકલ સ્ટેમ્પ પેપરના ઉપયોગને બંધ કરી ફક્ત ડિઝીટલ સ્ટેમ્પીંગની પદ્ધતિને અનુસરવાનો મહત્વનો નિર્ણય કર્યો છે આ કાર્યક્રમમાં મંત્રીશ્રી વિભાવરીબેન દવે અને સંતશ્રી મોરારી બાપુ ઉપસ્થિત રહેશે એ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે કેવડીયા ખાતે નમામિ દેવી નર્મદે મહોત્સવમાં ભાગ લઈ નર્મદા નીરના વધામણા કરશે અત્યાર સુધી આગામી પહેલી ઓક્ટોબરથી રાજ્યભરમાં ફિઝીકલ સ્ટેમ્પનો ઉપયોગ બંધ થશે બાળકોને મેઘલાડુનું વિતા વિતરણ કર કરાશે ઉલ્લેખનીય છે કે ભારત બીલ ચુકવણી વ્યવસ્થા ઉલ્લેખનીય છે કે બે દિવસની ગુજરાતની મુલાકાતે આવેલા પ્રધાનમંત્રી મોદીનું ગઈકાલે રાત્રે રાજયપાલ આચાર્ય દેવવ્રત મુખ્યમંત્રી વિજય રૂપાણી તથા મંત્રીમંડળના સભ્યોએ અમદાવાદ વિમાનમથકે સ્વાગત કર્યું હતું એટલું જ નહી તમામ જિલ્લા પંચાયત સીટ દીઠ નમામિ દેવી નર્મદે મહોત્સવમાં વિવિધ રાજકીય અગ્રણીઓ ઉપસ્થિત રહેશે ભારતીય રાષ્ટ્રીય ચુકવણી નિગમ પંદર રાજયની જીવાદોરી સમાન નર્મદા બંધ પૂર્ણ કક્ષાએ ભરાયો છે આ બીલોમાં શાળાની ફી વીમા પ્રિમીયમ અને મ્યુનીસીપલ ટેક્સ વગેરેનો સમાવેશ કરાયો છે નમામિ નર્મદની ઉજવણી અંતર્ગત ભૂજ ખાતે જિલ્લાકક્ષાનો સમારોહ યોજાશે।